સોમવારે કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને યુસીસી સહિત ઘણા મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન આરિફ મોહમ્મદે કહ્યું કે યુનિફોર્મ સિવિલ કોડને દેશભરમાં લાગુ કરવામાં આવે. દરેકે તેનો સાથ આપવો જોઈએ. તેમણે કહ્યું કે યુસીસી કોઈ ધર્મને નિશાન બનાવતું નથી, પરંતુ તે દેશના તમામ નાગરિકો માટે એક સમાન કાયદાની વાત કરે છે. આરિફ મોહમ્મદ ખાને કહ્યું કે મને લાગે છે કે વડાપ્રધાને જે કહ્યું છે, જોકે મોડું થઈ ગયું છે, પરંતુ ક્યારેય ન થાય તેના કરતાં મોડું થવું સારું છે. તે જે કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તે બંધારણમાં સરકારની ફરજ તરીકે વર્ણવવામાં આવ્યું છે. લોકો કહે છે કે આપણો રાષ્ટ્રીય ગ્રંથ આપણું બંધારણ છે તો પછી યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ શા માટે? કેરળના રાજ્યપાલે ઇસ્લામ વિશે પણ મોટી મોટી વાત કરી હતી. તેમણે કહ્યું કે હલાલાનો ઉલ્લેખ કુરાનમાં નથી. ઇસ્લામ ગેરકાયદેસર સંબંધોને મંજૂરી આપતો નથી. આ પહેલા આરિફ મોહમ્મદ ખાને કહ્યું હતું કે આ દેશમાં છેલ્લા સિત્તેર વર્ષથી હિન્દુ કોડ બિલ લાગુ છે અને તે હિન્દુ, શીખ, બૌદ્ધ અને જૈનોને પણ એટલું જ લાગુ પડે છે. પરંતુ આજદિન સુધી કોઈ વિવાદ થયો નથી કારણ કે તે તમારા વ્યક્તિગત વ્યવહારને નિશાન બનાવતું નથી. બે રાજ્યો વચ્ચેની હિંસા ચૂંટણીનો સૌથી મોટો મુદ્દો કેવી રીતે બની? થી લઈને એ મેદાનમાં કૂદવું પડ્યું: કાકા-ભત્રીજાની લડાઈ ઉકેલાશે? બંને જગ્યાએ લગ્નની પરંપરા અલગ છે, બંનેની સંસ્કૃતિ અલગ છે, પરંતુ આમ છતાં આ કાયદો બન્નેને પ્રભાવિત કરતો નથી. કોઈ પણ કાયદો તમારી સંસ્કૃતિ, રીત રિવાજો, ધાર્મિક વિધિઓ અને પ્રથાઓને ટાર્ગેટ કરી જ શકતો નથી. આ પણ વાંચો યુનિફોર્મ સિવિલ કોડ મામલે પીએમ નરેન્દ્ર મોદી મક્કમ, સમાન નાગરિક કાયદો વિવિધ સમુદાયોને કેવી રીતે અસર કરશે લો કમિશને તાજેતરમાં જ દેશના નાગરિકો પાસેથી દેશમાં એક સમાન કાયદો બનાવવા માટે પંદર જુલાઈ સુધીમાં લેખિતમાં સૂચનો માંગ્યા છે. લો કમિશને એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું હતું કે દેશના તમામ નાગરિકો સમાન નાગરિક સંહિતા માટે પંદર જુલાઈ સુધીમાં લેખિતમાં પોત-પોતાના સૂચનો મોકલાવે. આ પછી આ ચર્ચાએ વધુ વેગ ત્યારે પકડ્યો જ્યારે સત્યાવીસ જૂને પીએમ મોદીએ ભોપાલમાં કહ્યું હતું કે ભારતના મુસ્લિમ ભાઈઓ અને બહેનોએ એ સમજવું પડશે કે કયા રાજકીય પક્ષો તેમને ઉશ્કેરી રહ્યા છે અને તેનો રાજકીય લાભ લઈ રહ્યા છે. આપણે જોઈ રહ્યા છીએ કે યુનિફોર્મ સિવિલ કોડના નામે આવા લોકોને ઉશ્કેરવામાં આવી રહ્યા છે. જો ઘરમાં એક સભ્ય માટે એક કાયદો હોય અને બીજા માટે બીજો નિયમ હોય તો શું ઘર ચલાવવું શક્ય બનશે? તો આવી બેવડી સિસ્ટમથી દેશ કેવી રીતે ચાલી શકશે? તેમણે કહ્યું કે આપણે યાદ રાખવું પડશે કે ભારતનું બંધારણ પણ નાગરિકોના સમાન અધિકારોની વાત કરે છે. પીએમ મોદીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ વારંવાર કહી રહી છે કે કોમન સિવિલ કોડ લાવો, પરંતુ આ વોટબેંકના ભૂખ્યા લોકો, જેઓ વોટબેંકની રાજનીતિ કરે છે તેમણે પસમંદા મુસ્લિમોનું શોષણ કર્યું છે પરંતુ તેમની ક્યારેય ચર્ચા થઈ નથી.